ઓલા ઈલેક્ટ્રિકે તાજેતરના સબસિડી રેટ લાગુ કર્યા બાદ બંને વેરિઅન્ટના ભાવમાં સ્કૂટર પણ મોંઘુ થઈ ગયું છે. વેરિઅન્ટના આધારે, કંપનીએ ગત સપ્તાહમાં બે વખત ઈ-સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો છે. એક નાની ભૂલ પણ ભારે પડશે. મેટર એરા બાઇક ભારતીય બજારમાં વેરિયન્ટને રૂપિયા એક પોઈંટ ચોપન લાખની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. છ જૂનથી ઇલેક્ટ્રિક બાઇકના બંને વેરિઅન્ટ ત્રીસ હજાર રૂપિયા મોંઘા થઈ જશે. આ ફેરફાર પછી, વેરિયન્ટની કિંમત એક પોઈંટ ચુંમોતેર લાખ રૂપિયા અને વેરિયન્ટની કિંમત એક પોઈંટ ચોર્યાસી લાખ રૂપિયા હશે. ઇ બાઇક રિવોલ્ટ આરવી ચારસો હવે તમે ઘરે બેઠા ખરીદી શકશો, જાણો કિંમત રેન્જ અને ફિચર્સ. નવું ઇલેકટ્રીક બાઇક રિવોલ્ટ આરવી ચારસો ઇવી ખરીદી પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીએ જાહેર કર્યું છે. નિયત કાર્ડ સાથે ખરીદી પર બેંક ઓફરનો લાભ મેળવી શકો છો. વધુમાં આ ઇવી હવે તમે ઘરે બેઠા બેઠા પણ ખરીદી કરી શકો છો. રિવોલ્ટ આરવી ચારસો નવું ઇ બાઇક રિવોલ્ટ મોટર્સ હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર આવ્યું છે. ગ્રાહકો હવે નવું ઇલેકટ્રીક બાઇક રિવોલ્ટ આરવી ચારસો ઓનલાઇન ખરીદી શકશે. કંપનીએ ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરાર કર્યા છે જેને પગલે ગ્રાહકો ઘરે બેઠા ઇ બાઇકનો ઓર્ડર કરી શકશે. ફ્લિપકાર્ટ સાથે ઓનલાઇન આ બાઇકનું વેચાણ શરૂ કરાયું છે. ફ્લિપકાર્ટ પરથી ઇલેકટ્રિક બાઇક રિવોલ્ટ આરવી ચારસો ખરીદી કરવાથી ગ્રાહકોને સ્પેશિયલ ઓફર અને અન્ય લાભ પણ મળશે. રિવોલ્ટ મોર્ટસ સમગ્ર દેશમાં પોતાની ઉપસ્થિતિ કાયમ રાખવા માટે દૂરના વિસ્તારોમાં પણ ગ્રાહકો સુધી ઇલેકટ્રિક બાઇક પહોંચાડવા માટે પોતાના લોજિસ્ટિકસ નેટવર્કનો ઉપયોગ કરશે. રતન એન્ટરપ્રાઇસના ચેરપર્સન અંજલિ રતને કહ્યું કે, ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર રિવોલ્ટ મોટર્સના વેચાણ માટે અમે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી છે. રિવોલ્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલી સમજૂતી પર્યાવરણ અંગે જાગૃત ગ્રાહકોના વિશાળ સમૂહ સુધી પહોંચવા અને એમને સરળતાથી ઇવી ઇ બાઇક પુરૂ પાડવાનો પ્રયાસ છે. વધુમાં તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આ સમજૂતી કરારથી ઇલેકટ્રિક વાહન ખરીદીમાં વધારો અને તેજી લાવશે અને દેશમાં ઇવી મામલે સાચા અર્થમાં એક ક્રાંતિ આવશે. ફ્લિપકાર્ટ પરથી તમે ઇ બાઇક ખરીદી પર આ લાભ મેળવી શકો છો.